સુરક્ષિત આ બ્રાઉઝર ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું છે તેને કારણે તેની સુરક્ષા પણ એટલી જ મજબૂત હોવાની છે, તેમાં તમને સેફટી ચેક કરવાનું પણ ફીચર મળે છે જેની મદદથી તમે તમારા બ્રાઉઝરની સુરક્ષાનું ચેકિંગ કરી શકો છો. સરળ ઇન્ટરફેસ ગૂગલ ક્રોમમાં તમને ખૂબ સરળ અને સહેલું ઇન્ટરફેસ જોવા મળે છે અને જ્યારે કોઈ વ્યક્તિ નવું ક્રોમ બ્રાઉઝર ઇન્સ્ટોલ કરે છે તેને વાપરવા માટે તેને વધારે મુશ્કેલી નથી પડતી. ભાષાઓ તમને ગૂગલ ક્રોમમાં ઘણી બધી ભાષાઓનો સપોર્ટ મળે છે જેનો ઉપયોગ કરી તમે ગૂગલ ક્રોમને હિન્દી અથવા ગુજરાતી ભાષામાં પણ ઉપયોગ કરી શકો છો જેથી તમને આ બ્રાઉઝરને વાપરવામાં ખૂબ સરળતા રહે છે. એક્સટેન્શન ગૂગલ ક્રોમના વેબ સ્ટોરમાં તમને વન લાખ ફિફ્ટી હજારથી પણ વધારે એક્સટેન્શન જોવા મળે છે જેનો ઉપયોગ કરી તમે પોતાના બ્રાઉઝરની ક્ષમતા વધારી શકો છો અને તેને વધારે પાવરફુલ બનાવી શકો છો. થીમ ગૂગલ ક્રોમમાં તમને ખૂબ વધારે માત્રામાં થીમ જોવા મળે છે જેને તમે ઇન્સ્ટોલ કરીને લગાવી શકો છો જેથી તમારું ઇન્ટરફેસ તમારા પસંદનું થઈ જશે અને તમે ક્રોમનો ઉપયોગ વધુ સરળતાથી કરી શકશો. તમે એવી ડાર્ક થીમનો ઉપયોગ કરીને પોતાના ક્રોમમાં જ ડાર્ક મોડ જેવો આનંદ પણ લઈ શકો છો. મિત્રો આવા અનેક ફીચર્સ તમને ગૂગલ ક્રોમમાં જોવા મળે છે અને આશા રાખું છુ કે તમને ગૂગલ ક્રોમ વિશે સરળ જાણકારી મળી હશે. પોતાના મિત્રો સાથે પણ આ જાણકારીને શેર કરો જેથી તેમને પણ ગૂગલ ક્રોમ વિશે આવી માહિતી જાણવા મળે. તમે અમારી અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો. કમ્પ્યુટર નેટવર્ક એટલે શું? આઉટપુટ ડિવાઇસ એટલે શું? ગ્રાફિક કાર્ડ એટલે શું? ઈનપુટ ડિવાઇસ એટલે શું? ફંક્શન કી શું હોય છે? માઉસ એટલે શું? માઉસ વિશે સંપૂર્ણ જાણકારી આપણે સૌ માઉસ નામથી પરિચિત છીએ, માઉસનો એક અર્થ ઉંદર થાય અને બીજો અર્થ કમ્પ્યુટર માઉસ થાય છે. આજે આપણે કમ્પ્યુટરમાં ઉપયોગ આવતા એક મહત્વના ઈનપુટ ડિવાઇસ માઉસ વિશે વાત કરવાના છીએ. જેમ રેલ્વેમાં એક ટ્રેન તેના એંજિન વગર અધૂરી છે તેવી જ રીતે કમ્પ્યુટર માઉસ વગર અધૂરું છે. કમ્પ્યુટરમાં માઉસ ખૂબ જ જરૂરી ઈનપુટ ડિવાઇસ છે. માઉસનો ઉપયોગ કેવી રીતે થાય એ તમને ખબર જ છે અને તમે તેનો ઉપયોગ પોતાના રોજિંદા જીવનમાં કમ્પ્યુટર વાપરતી વખતે કરો જ છો, પણ મિત્રો આ માઉસ એટલે શું? તેની શોધ કોને કરી? તેના કેટલા પ્રકાર છે? આ માઉસ કેવી રીતે બનાવવામાં આવ્યું? તેના વિશે તમને આજે જાણવા મળશે. માઉસ એટલે શું?